મારી નજર તેમના વરંડામાં રાખેલી ડઝનબંધ ફાઈલો પર પડી. એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ વકીલના ઘરે બેઠો છું. લાલ બિહારી જણાવે છે, "આ બધી ફાઈલો મારા કેસ સાથે જોડાયેલી છે. હું અંગૂઠાછાપ છું. ભણવાનો મોકો જ ન મળ્યો, પણ મારા મિત્રોની મદદથી હું થોડું લખતા-વાંચતા શીખી ગયો છું." તેઓ હસીને કહે છે, "ગામમાં એક માણસનું મૃત્યુ થયું છે. તેના અંતિમ સંસ્કારમાં જવાનું છે." લાલ બિહારી જણાવે છે,કે "આ મારી નાનીનું ઘર છે. મારું અસલી ઘર અહીંથી એંસી કિલોમીટર દૂર ખલીલાબાદમાં છે. ઓગરીસો પંચાવન ની વાત છે. લગભગ આઠ-નવ મહિનાનો હતો. અચાનક પિતાનું મૃત્યુ થયું. વિધવા મા ને કોઈ દેખભાળ કરનારું નહોતું. ખૂબ ગરીબ પરિવાર હતો. મા મને લઈને અહીં આવી ગઈ. થોડો મોટો થયો." તો તેમણે જણાવ્યું, "પિતાના મૃત્યુ પછી બધા મારી માને 'મનહૂસ' કહીને મહેણાં મારતા હતા." કહેતા હતા, "જુઓ, આના કેવા કરમ છે. આવતા જ પતિને ખાઈ ગઈ." મને પણ કહેતા હતા, "કેવો અભાગીયો દીકરો જન્મ્યો. જન્મ લેતા જ બાપને મારી નાખ્યો." મા જણાવે છે કે, "અમારી હાલત એટલી ખરાબ હતી કે એક રોટલીમાં આખો દિવસ પસાર થતો હતો. ઘરમાં દૂધ નહોતું." "અહીં પાસે કેટલાક વણકરો કપડાં બનાવતા હતા. જ્યારે સાત-આઠ વર્ષનો થયો, તો માએ મને તેમની પાસે કામ શીખવા મોકલી દીધો. તે સમયે તે જમીનદારોના ખેતરોમાં કામ કરતી હતી. ધીમે-ધીમે મેં વણાટકામ શીખી લીધું. દસ વર્ષનો થયો તો લગ્ન થઈ ગયા, અને આઠ વર્ષ પછી, એટલે કે અઢાર વર્ષનો થયો ત્યારે પત્ની ઘરે આવી ગઈ. હવે કામની જરૂર પડવા લાગી. બેંકમાંથી લોન લેવા ગયો તો જમીનનો કાગળ માંગવામાં આવ્યો. ત્યાંથી તહસીલ પહોંચ્યો. ત્યાં ખબર પડી કે મને કાગળોમાં મરેલો ઘોષિત કરી દેવામાં આવ્યો છે. સમજાતું નહોતું કે શું કરું? વિચાર્યું, કોર્ટનો રસ્તો અપનાવું, પરંતુ મારા એક જાણકારે જણાવ્યું, "તું કોર્ટમાં ચક્કર લગાવતા મરી જઈશ, કંઈ સાબિત નહીં થાય. એવું કર, તારા નામની આગળ મૃતક લખીને પ્રશાસનને પત્રો મોકલવાનું શરૂ કર." લાલ બિહારી જણાવે છે, "તેના પછી મેં અધિકારીઓને ઘણા પત્રો લખ્યા. મારા નામની આગળ મૃતક લખતો, પરંતુ ત્યારે પણ કંઈ ન થયું." આ વાતચીત દરમિયાન જ પાસે તેમની પત્ની કરમી દેવી પણ આવીને બેસી જાય છે. તેઓ કહે છે, "ખૂબ પરેશાન હતો. સમજાતું નહોતું કે શું કરું? એક દિવસ ઘરે બેઠો હતો. મનમાં વિચાર આવ્યો કે શા માટે કોઈની હત્યા ન કરું અથવા કોઈ મોટો ગુનો ન કરું? જેથી પોલીસ મને પકડીને જેલમાં નાખી દે. જેલમાંથી જ્યારે કોર્ટમાં મને રજૂ કરશે ત્યારે ત્યાં